વાસ્તવમાં, ઘર સજાવટના વિચારો છબી-આધારિત પ્લેટફોર્મ પર સૌથી વધુ સર્ચ કરાયેલા વિષયો પૈકી એક છે. ઘણાં હોમ ડેકોર મેગેઝિન અને બ્લોગ્સ વાંચો. લેખો અમારા યુગના કેટલાક સૌથી પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર્સના વિચારો, ટિપ્સ અને યુક્તિઓની પુષ્કળ તક આપે છે અને તમને તમારા ઘરને સુશોભિત કરવામાં મદદ કરશે. રંગો કે જે પીકોક હોમ ડેકોર સાથે સારી રીતે જાય છે જ્યારે તમે મોરના પીંછા જુઓ છો, ત્યારે તે બહુવિધ રંગોનું મિશ્રણ છે. યાદ રાખો, જો તમે મોરપીંછના રંગો સાથે વિવિધ રંગોના સંયોજનોનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમે નીચેનાનો ઉપયોગ કરી શકો છો. લીલો તમારી જગ્યાને રોયલ દેખાવ આપવા માટે હળવા શેડમાં લીલા રંગોના મિશ્રણ સાથે પીકોક બ્લુ શેડને પૂરક બનાવો. જો કે,બે રંગોને મિશ્રિત કરતી વખતે, તમારે રંગોને મિશ્રિત કરવામાં ખૂબ કાળજી લેવાની જરૂર છે. ગુલાબી પીકોક બ્લુ અને પિંક અત્યંત વિરોધાભાસી રંગો છે. આ મિશ્રણ બનાવવા માટે માત્ર એક રંગનો મહત્તમ અને બીજા રંગનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે બંને રંગોનો ઉપયોગ બોલ્ડ સ્ટેટમેન્ટ બનાવવા માટે થાય છે. નારંગી પીકોક બ્લુ અને નારંગીના શેડ્સ સાથે સારી રીતે સંતુલિત આંતરિક દેખાવ બનાવો. વાદળી આછો અને ઠંડો રંગ છે. તે જ સમયે, નારંગી ગરમ રંગોના પરિવાર સાથે સંબંધિત છે. જો કે, મિશ્રણ બનાવવા માટે તેમને મિશ્રિત કરતી વખતે, ખાતરી કરો કે તમે ગરમ રંગોના યોગ્ય શેડનો ઉપયોગ કરો નહીં તો, સંયોજન મુશ્કેલ દેખાઈ શકે છે. સરવાળે પીકોક હોમ ડેકોર આઈડિયાઝ જો તમે તમારા ઘરને કાયાપલટ કરવા માટે અનોખા મોરનાં ઘરની સજાવટનાં વિચારો શોધી રહ્યાં છો, તો મોરનાં ઘરની સજાવટ કરતાં વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. તે અદભૂત રંગછટા હોય અથવા મોર ઘરની સજાવટ બનાવે છે તે આકર્ષક કુદરતી વાતાવરણ હોય, તે કોઈ આશ્ચર્યની વાત નથી કે લોકો વલણ તરફ વળે છે અને તેમના ઘરને ભવ્ય નિવાસસ્થાનમાં ફેરવે છે. બાથરૂમ ટાઇલ્સ ફ્લાવર ડિઝાઇન આઇડિયાઝ બાથરૂમનું આંતરિક તમારા આખા ઘરનું સૌથી અનોખું તત્વ છે. લોકો તેમના બાથરૂમમાં વ્યક્તિગત માળ તેમજ દિવાલો રાખવાનું પસંદ કરે છે જે તેમના બાથરૂમને સુંદર દેખાવ અને આનંદદાયક વાતાવરણ આપશે. બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ બાથરૂમ ટાઇલ્સની ફૂલ ડિઝાઇન પસંદ કરીને, તમે તમારા બાથરૂમને તમારા ઘરનો શ્રેષ્ઠ અને સૌથી વૈભવી ખૂણો બનાવી શકો છો જ્યાં તમે આનંદથી આરામ કરી શકો છો. અહીં અમે બાથરૂમ ટાઇલ્સ ફૂલ ડિઝાઇન આઇડિયાની ચર્ચા કરીશું જે તમને સંદર્ભમાં શ્રેષ્ઠ વિચારો